આથી મની પ્લાન્ટને વાદળી રંગની બોટલમાં ઉત્તર દિશામાં મુખ રાખીને રાખવાથી ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. મની પ્લાન્ટ સંપત્તિમાં વધારો કરે છે .પૂર્વપ્રભાવશાળી લોકો સાથે સંપર્કો વધારવા અને તમારા સામાજિક ક્રિયાપ્રતિક્રિયા વર્તુળને વિસ્તૃત કરવા માટે પૂર્વ તરફ મુખવાળી લીલી બોટલમાં મની પ્લાન્ટ મૂકો. મની પ્લાન્ટ હવાને શુદ્ધ કરે છે. દક્ષિણ દિશા કીર્તિ અને વિસ્તરણ સૂચવે છે. મની પ્લાન્ટને જમીનમાં દક્ષિણ દિશામાં મુખ રાખીને રાખવાથી તમારી આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે. મની પ્લાન્ટ સ્થિતિ સુધારે છે .દક્ષિણ-પૂર્વ આ દિશા દેવી લક્ષ્મીનું પ્રતિનિધિત્વ કરે છે. પૈસાનો ઉદાર પ્રવાહ સુનિશ્ચિત કરવા માટે મની પ્લાન્ટને લાલ અથવા બ્રાઉન બોટલમાં માટીમાં મૂકવાની સલાહ આપવામાં આવે છે. બોટલમાં મની પ્લાન્ટને પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાનું ટાળો, કારણ કે તે તમારી કારકિર્દીમાં અસ્થિરતા લાવી શકે છે અને સંબંધોને અસર કરી શકે છે. છોડ કે જે સંપત્તિ, આરોગ્ય અને પ્રેમ લાવે છે .બેડરૂમમાં મની પ્લાન્ટના વાસ્તુ પ્લેસમેન્ટ પર તેનો સારાંશ, વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટનું જબરદસ્ત મહત્વ છે, કારણ કે તે તમારી સર્જનાત્મકતાને વધારી શકે છે, તમારો મૂડ સુધારી શકે છે, તણાવ ઓછો કરી શકે છે અને ઉત્સાહ વધારી શકે છે. જો કે, મહત્તમ લાભ મેળવવા માટે તમારે વાસ્તુ ટીપ્સને ધાર્મિક રીતે અનુસરવી જોઈએ. તમારા બેડરૂમમાં મની પ્લાન્ટ મૂકવાથી મન શાંત થઈ શકે છે અને આંખોને શાંતી મળે છે, જેનાથી ઘરમાં સકારાત્મકતા વધે છે. છોડ વિશે વધુ વાંચો સ્નેક પ્લાન્ટ, જેડ પ્લાન્ટ ,બોંસાઈ પ્લાન્ટ, એલોવેરા પ્લાન્ટ, શમી પ્લાન્ટ ,તુલસીનો છોડ ,ઇન્ડોર હેંગિંગ પ્લાન્ટ્સ ઘર માટે પ્લાન્ટ શ્રેષ્ઠ . માટે બેડરૂમની દિવાલો માટે બે રંગનું સંયોજન, બેડરૂમતમારા ઘરની સૌથી મહત્વપૂર્ણ જગ્યાઓમાંથી એક છે અને તમે બેડરૂમની દિવાલો માટે બે રંગ સંયોજનોની મદદથી તેને સુંદર અને આવકારદાયક બનાવી શકો છો. જગ્યાના સૌંદર્ય શાસ્ત્ર અને શક્તિઓને વ્યાખ્યાયિત કરવામાં રંગો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જ્યારે દરેક રંગની પોતાની સુંદરતા અને મહત્વ હોય છે, ત્યારે એવા રંગો પસંદ કરવા જે એકસાથે સારી રીતે લાગે તે એક કળા છે. એક રસપ્રદ રંગ સંયોજન બનાવવાનું તમારા પર છે, અને બે રંગોનો ઉપયોગ તમારા રૂમમાં ચોક્કસ પેનેચે ઉમેરવામાં મદદ કરે છે. બેડરૂમમાં રંગ સંયોજનો વધુ શક્તિશાળી અસર ધરાવે છે, તેથી સમજદારીપૂર્વક પસંદગી કરવી અને વિવિધ રંગોની અસર જાણવી મહત્વપૂર્ણ છે. કલર કોમ્બિનેશન તમારા માટે સૌથી યોગ્ય છે તેના આધારે મૂડને વાઇબ્રન્ટ, મ્યૂટ, શાંત, બોલ્ડ, પેસિવ વગેરે તરીકે સેટ કરવા માટે કામ કરી શકાય છે. તેથી, તમે જીવનમાં અથવા તમારા વ્યક્તિત્વમાં શું શોધો છો તેના આધારે, તમે વિવિધ વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો. બેડરૂમ